લાખ ચૂકવશે અને બાકીના મહિના માટે તેઓ દર મહિને રૂ. લાખનું ભાડું ચૂકવશે. તેઓએ બિલ્ડીંગનો મો માળ વર્ષ માટે ભાડે રાખ્યો છે અને તેઓ લગ્નજીવનનો આનંદ માણવા તૈયાર છે. બિલ્ડિંગના મુખ્ય સ્થાન અને બાકીના શહેર સાથે તેની કનેક્ટિવિટી ધ્યાનમાં લેતા, અમે કહીશું કે તે ચોક્કસપણે એક સરસ સોદો છે! પણ વાંચોભારતમાં સૌથી મોંઘા મકાનો કેટરિના કૈફ અને વિકી કૌશલ હાઉસની અંદર લહેરાતા પામ વૃક્ષો વચ્ચે સેટ, કેટરિના કૈફ અને વિકી કૌશલનું ઘર જોવા જેવું છે. તેમાં જગ્યા ધરાવતી રૂમ, મોડ્યુલર કિચન અને સુંદર સિટ-હાઉટ આઉટ એરિયા છે જેથી કેટરિના કૈફ અને વિકી કૌશલ્ય આરામથી રહી શકે. તદુપરાંત, બિલ્ડીંગ માર્બલ ફ્લોરિંગ, બ્રાન્ડેડ એલિવેટર્સ, એક અદ્યતન જિમ અને બાળકો માટે અદ્ભુત રમત ક્ષેત્રથી સજ્જ છે. ચાલો કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરની વર્ચ્યુઅલ ટૂર કરીએ, જે એક કરતાં વધુ રીતે અલગ છે. એન્ટિલિના, મુકેશ અંબાણી હાઉસકિંમત, સરનામું, ચિત્રોમુકેશ અંબાણીની નેટવર્થ, પટૌડી પેલેસકિંમત, ફોટા, સૈફ અલી ખાનના ઘરની અંદરનો નજારો, ચેન્નાઈમાં સુપરસ્ટાર રજનીકાંત હાઉસએક વર્ચ્યુઅલ ટૂર, મુંબઈમાં સની દેઓલનું ઘરસરનામું, કિંમત, અંદરનું દૃશ્ય અને ફોટા, સૌરવ ગાંગુલી હાઉસકિંમત, સરનામું, આંતરિક અને છબીઓ, જેકલીન ફર્નાન્ડીઝ હાઉસફોટા, સ્થાન, નેટ વર્થ અને વધુ, વિદેશમાં અબજોપતિ ભારતીયોની માલિકીના સૌથી મોંઘા મકાનો, કેટરિના અને વિકી કૌશલ્ય હાઉસ લિવિંગ રૂમ કેટરિના કૈફ તેના લિવિંગ રૂમમાં સેલ્ફ-પોટ્રેટ ફોટોશૂટનો આનંદ માણી રહી છે વિકી અને કેટરિનાના ઘરનો સૌથી વિશાળ વિસ્તાર તેનો લિવિંગ રૂમ છે, જે હવાદાર અને સારી રીતે પ્રકાશિત છે. લાઈટ બ્રાઉન લાકડાના ફ્લોરિંગ અને ફિક્ચર લિવિંગ રૂમને અત્યંત આધુનિક દેખાવ આપે છે, જે નવા યુગના ન્યૂનતમ દેખાવથી પ્રેરિત છે. લિવિંગ રૂમમાં ફ્લોર-ટુ-સીલિંગ શેલ્ફ ઉપલબ્ધ છે, જે ઇન્ડોર પ્લાન્ટ્સ અને કોમ્પેક્ટ શોપીસથી સુશોભિત છે. લિવિંગ રૂમમાં પીળા રંગની ખુરશીઓ છે જ્યાં મહેમાનો આરામ કરી શકે છે અને કેટરિના અને વિકી સાથે ચેટ કરી શકે છે. તદુપરાંત, લિવિંગ રૂમ એક વિશાળ ડિઝાઇન એરિયા તરફ દોરી જાય છે જેમાં તેજસ્વી નારંગી ખુરશીઓ સાથેનું એક અસ્પષ્ટ ડાઇનિંગ ટેબલ છે. કેટરીના કૈફ અને વિકી કૌશલ્ય હાઉસ બેડરૂમ કેટરિના અને વિકી પાસે આરામદાયક બેડરૂમ છે જે બીચ અને ક્રેશિંગ મોજાને નજરઅંદાજ કરે છે. જ્યારે છત આધુનિક લાઇટ ફીચર્સથી સજ્જ છે, ત્યારે દિવાલો હાથીદાંતની સુંદર છાયાની છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ્ય તેના ઘરે પોઝ આપતાં કેટરિના અને વિકીનો હાઉસમાં લવલી સિટ-આઉટ એરિયા કેટરિના કૈફ અને વિકી કૌશલ્યના ઘરની મુખ્ય વિશેષતાઓમાંની એકસુંદર સિટ-આઉટ વિસ્તાર છે જે બીચ અને શાંત અરબી સમુદ્રને નજર રાખે છે. હરિયાળી અને લહેરાતા છોડથી ભરપૂર,સિટ-આઉટ એરિયા કેટરીના અને વિકી